તેમની વચ્ચે ચેટિંગની શરૂઆત થઈ અને અમે સારા મિત્રો બની ગયા હતા, પણ થોડાદિવસ પછી તેણે મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે સ્વેચ્છાએ ભારત આવવા કહ્યું. હું પણ તેને મળવા ઉત્સુક હતી. કેવી રીતે ખંખેર્યા રૂપિયા? ફરિયાદ પ્રમાણે, જેમ્સ ડોસને તેમને ફોન કરીને કહ્યું કે તે ભારત આવ્યો હતો પણ તેના માટે મોંઘા ગીફ્ટ લાવવાના કારણે કસ્ટમ વિભાગે તેને પકડી લીધો છે. ડોસને તેને કસ્ટમ વિભાગને જરૂરી રૂપિયા આપવાનો આગ્રહ કર્યો છે અને તે રૂપિયા મહિલા પાસેથી માગતા મહિલા શિક્ષિકાએ ચુવકણું કર્યું હતું. આવુંઆરબીઆઈને પેમેન્ટ કરવા કહ્યું અને હાલમાં યુનાઈટેડ નેશન્સ ને ચુકવણું કરવા કહેવાયું હતું. તેણે કહ્યું કે તે પ્રમાણિત કરશે કે ડોશનને છોડાવા માટે કરવામાં આવેલા મારા ચુકવણાનો ઉપયોગ આતંકી ફંડિંગમાં નથી કરાયું. મહિલાએ લગભગ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. પછી તેણે વધુ પૈસા માગ્યા અને મામલાને બંધ કરવા માટે મહિલા પાસે રકમ ઉધાર લેવા કહ્યું હતું. મામલે મહિલા શિક્ષિકાએ વિદેશી મિત્રની મદદ કરવા માટે પૈસા ભેગા કરવા પોતાના મિત્રોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. તેમાંથી એક સાયબર ક્રાઈમ વોલેંટિયરે તેને કહ્યું કે મને એવું લાગે છે કે તે સાયબર ફ્રોડનો શિકાર થયા છે. પણ મહિલાને તો પોતાના વિદેશી મિત્ર પર દ્રઢ વિશ્વાસ હતો પણ હવે તે વિશ્વાસ ડોલવા લાગ્યો હતો. મહિલાએ કહ્યું કે મારેમામલે મારા પતિને કહેવું પડશે, પણ હું ડોશનના મામલાની ઉંડાણ સુધી જઈશ. હવે ગુજરાત સીઆઈડીના સાયબર સેલના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલા મહેસાણાના એક વૃદ્ધ ગ્રામવાસી પણ બ્રિટનની એક મહિલા મિત્રના પ્રેમમાં પડ્યા હતા અને જ્યારે તે તેને મળવા માટે ભારત આવી ત્યારે તેને છોડાવા માટે લાખ રૂપિયા પડાવ્યા હતા. જે પરિવારના સદસ્યોએ પોલીસની મદદ માગી તો દિલ્હીથીઘટનામાં નાઈઝીરિયન શખ્સને પકડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કેમામલે પણ હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આગામી સમયમાં કોઈ મોટો ભાંડો ફૂટે તો નવાઈ નહીં.